ચૂનોપૂજા કર્યા પછી, પાંચ ચૂનો ખૂણામાં અને ભૂમિપૂજન સ્થળની મધ્યમાં મૂકવામાં આવે છે અને તેનો ભૂકો કરવો જોઈએ. ભૂમિપૂજન માટેનો મંત્ર ભૂમિપૂજન કરતી વખતે વિવિધ દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આમ, પુષ્કળ ભૂમિ પૂજન મંત્રોનો જાપ કરવામાં આવે છે. તમામ મંત્રોમાંથી, સૌથી મહત્વપૂર્ણ અને સામાન્ય મંત્ર છે, ઓમ વસુંધરાય વિદ્મહે ભૂતધાત્રય ધીમહિ તન્નો ભૂમિહ પ્રચોદયાત્'. મંત્રનો અર્થ છે કે ચાલો આપણે ભૂમિ દેવી માટે જપ કરીએ, જે દરેક વસ્તુની પ્રદાતા છેઅમે ભૂમિ દેવીને પ્રાર્થના કરીએ છીએ કે તે અમને નસીબ અને વિપુલતાથી આશીર્વાદ આપે. ઉપરાંત પૂજન દરમિયાન ગણેશ મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ પણ કરવામાં આવે છે. ભૂમિ પૂજન મુહૂર્તભૂમિ પૂજન સામગ્રીની યાદી. અહીં ભૂમિપૂજા માટે જરૂરી વસ્તુઓની વિગતવાર સૂચિ છે. જો કે, તે વિવિધ પરંપરાઓથી અલગ હોઈ શકે છે. ભૂમિપૂજન માટે જરૂરી વસ્તુઓ છે. હળદર, ધૂપ, લાકડી, કુમકુમ, કપૂર, ફળો પ્રકારના રત્નો ફૂલો સુકી ખારેક, ધાતુઓ, લીલો ચૂનો, વિવિધ પ્રકારના બીજ, દીવો, એક મીટર સફેદ કાપડ, ઇંટો. કલશ, પંચપત્રો, કલશ, દેવતાનું ચિત્ર/મૂર્તિ, પાન તથા સોપારી અને બદામ, આંબાના પાન, મિસરી, હવન સામગ્રી પેકેટ, પૂજા થાળી, લોટા, આસન, ટેબલ. જમીન ખરીદ્યા પછી શું કરવું અને શું કરવું નહીં જમીન ખરીદ્યા પછી જે બાબતો કરવી જોઈએ તે નીચે મુજબ છેકમ્પાઉન્ડ વોલબાંધકામ શરૂ કરતા પહેલા કમ્પાઉન્ડ વોલ બાંધવી જરૂરી છે. ખાતરી કરો કે તમે દક્ષિણ-પશ્ચિમ દિવાલની ઊંચાઈ ઘરની અન્ય દિવાલો કરતા વધારે રાખો. અને પૂર્વ અને ઉત્તરની દિવાલો ઘરની પશ્ચિમ અને દક્ષિણની દિવાલો કરતા ટૂંકી હોવી જોઈએ. ગાય અથવા વાછરડું લાવોએકવાર તમે બાંધકામ માટે જમીન પસંદ કરી લો અને ખરીદી લો, પછી જમીન પર વાછરડું અથવા ગાય રાખવું શુભ માનવામાં આવે છે. છોડ ઉગાડોનવી ખરીદેલી જમીન પર કેટલાક છોડ ઉગાડવાનું સારું માનવામાં આવે છે. ભૂમિપૂજાવ્યક્તિએ ભૂમિપૂજનની વિધિ કરવી જોઈએ કારણ કે તે ખૂબફળદાયી અને સારા નસીબ લાવવા માટે જરૂરી છે અને પરિવારના તમામ સભ્યોના જીવનમાં ખુશીઓ ઉમેરે છે. ભૂમિપૂજન દરમિયાન શું ટાળવું જોઈએ ભૂમિપૂજન કરતી વખતે વ્યક્તિએ અથવા પરિવારના સભ્યોને કોઈ દુર્ઘટના કે કોઈ નુકસાનથાય તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને ટાળવી જોઈએ. તેમને અહીં શોધોભૂમિપૂજન માટે ટાળવાના દિવસોઃ મંગળવાર, શનિવાર અને રવિવારે ભૂમિપૂજન કરવાનું ટાળવું જોઈએ. ભૂમિપૂજન માટેદિવસો બહુ શુભ માનવામાં આવતા નથી. ટાળવા માટેના પક્ષો આવા શુભ કર્મકાંડ કરવા માટે નીચેના પક્ષો દિવસમાં શ્રાદ્ધ પક્ષ અને વદ પક્ષને ટાળવું હંમેશા સારું છે. ટાળવા માટેની તિથિ: ચોથી, નવમી અને ચૌદમી તિથિને ગૃહ નિર્માણ પૂજા માટે આદર્શ માનવામાં આવતી નથી. ઘર બાંધકામ માટે મુહૂર્ત તબક્કાઓ તમારા ઘરના નિર્માણ માટેના મુહૂર્તના